હેડસેટ કેવી રીતે કામ કરે છે? વિઝન પ્રો એપલની નવી વિઝન ઓપરેટિંગ સિસ્ટમને ત્રણ પરિમાણમાં રજૂ કરવા માટે બિલ્ટ-ઇન ડિસ્પ્લે અને ખાસ લેન્સ સિસ્ટમનો ઉપયોગ કરે છે. એપલના જણાવ્યા અનુસાર, યુઝર્સ તેમની આંખો, હાથ અને અવાજ દ્વારા ડિજિટલ કન્ટેન્ટ સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે. આનો અર્થ એ છે કે યુઝર્સ ડિજિટલ કન્ટેન્ટ સાથે એવી રીતે ઇન્ટરેક્ટ કરી શકે છે, જાણે તે તેમની આસપાસની વાસ્તવિક દુનિયામાં જ હાજર હોય. પ્રમોશનલ વીડિયોમાં હેડસેટ પહેરનાર વ્યક્તિની આંખો બહારથી દેખાય. તેથી એવું લાગે છે કે વિઝન પ્રોમાં પારદર્શક કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. બહારની તરફ એક ડિસ્પ્લે છે, જે યુઝરની આંખોનું લાઇવ વિઝ્યુઅલ બતાવે છે. ટેકક્રંચના જણાવ્યા અનુસાર, વિઝન પ્રોમાં કુલ ત્રેવીસ સેન્સર્સ છે, જેમાં બાર કેમેરા, પાંચ સેન્સર્સ અને છ માઇક્રોફોન્સનો સમાવેશ થાય છે. આ સેન્સર્સ તેની ચિપ્સ, આંતરિક ડિસ્પ્લે અને જટિલ લેન્સ સિસ્ટમ સાથે મળીને કામ કરે છે. આ ટેક્નોલોજી દ્વારા યુઝર્સને એવું લાગે છે કે તે પોતાની આસપાસની વાસ્તવિક દુનિયા જોઈ રહ્યો છે, જ્યારે હકીકતમાં કેમેરા દ્વારા મળતા લાઇવ ફીડની ઉપર ડિજિટલ કન્ટેન્ટ રજૂ કરવામાં આવે છે. હેડસેટની અંદરના ઇન્ફ્રારેડ કેમેરા યુઝરની આંખોને ટ્રૅક કરે છે. આના આધારે સિસ્ટમ નક્કી કરે છે કે યુઝર કઈ વસ્તુ તરફ જોઈ રહ્યો છે અને તે મુજબ ડિસ્પ્લેમાં ફેરફાર કરે છે. હેડસેટની નીચેની તરફ રહેલા કેમેરા હાથની હિલચાલને ટ્રૅક કરે છે. તેના કારણે યુઝર વિવિધ હાવભાવ દ્વારા ડિજિટલ કન્ટેન્ટ સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે. હેડસેટની બહારના સેન્સર્સ તેની આસપાસની વસ્તુઓ અને જગ્યાની સ્થિતિને રિયલ ટાઇમમાં ઓળખે છે. વિઝન પ્રો પાછળનું વિજ્ઞાન આપણે ત્રણ પરિણામવાળી દુનિયામાં રહીએ છીએ અને વસ્તુઓને ત્રણ પરિ પરિમાણમાં જોઈએ છીએ. પરંતુ આપણી દરેક આંખ વાસ્તવમાં વસ્તુની થોડી અલગ દ્વિ-પરિમાણીય છબી જુએ છે. આપણા મગજને બંને આંખોમાંથી મળતી આ બે છબીઓને જોડીને ઊંડાઈ અને અંતરનો અનુભવ થાય છે. વિઝન પ્રો પણ આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને બંને આંખો માટે અલગ દૃશ્યો રજૂ કરે છે, જેથી યુઝરને ત્રિ-પરિમાણીય અને ઊંડાઈ ધરાવતો અનુભવ થાય છે.